તેથીતે કેવી રીતે કાર્ય કરે છે? સારું, અમે હમણાં બતાવ્યું કે તમે જીવંત કોસિકા માંથી સેલ્યુલર મશીનરી લઈ શકો છો અને તેને કાગળ પર આર. એન. એ. સેન્સર સાથે સ્થિર-મુકવી દો ઇબોલા અને ઝિકા માટે ઓછા ખર્ચે ડાયગ્નોસ્ટિક્સ બનાવવા માટે. સેન્સર ત્યારે સક્રિય થાય છે જ્યારે તેઓ દર્દીના નમૂના દ્વારા પાણી પીતા હોય છે જેમાં લોહી અથવા લાળ હોઈ શકે છે, ઉદાહરણ તરીકે. તે તારણ આપે છે, આ તકનીકી કાગળ સુધી મર્યાદિત નથી અને કાપડ સહિતની અન્ય સામગ્રી પર લાગુ કરી શકાય છે. કોવીડ-નાઇનટીન રોગચાળા માટે, અમે વાયરસને શોધવા માટે આરએનએ સેન્સરની રચના કરી રહ્યા છીએ અને આવશ્યક સેલ્યુલર મશીનરી સાથે આની સ્થિર-સૂકવણી ફેસ માસ્કના ફેબ્રિકમાં, જ્યાં શ્વાસની સરળ સક્રિયા, તેની સાથે આવતી પાણીની વ વરાળ સાથે, પરીક્ષણ સક્રિય કરી શકો છો. આમ, જો કોઈ દર્દી સાર્સ-કોવ-બે થી ચેપી છે, માસ્ક ફ્લોરોસન્ટ સિગ્નલ ઉત્પન્ન કરે છે, જે સરળ, સસ્તી હેન્ડહેલ્ડ ડિવાઇસ દ્વારા શોધી શકાય છે, એક કે બે કલાકમાં, કોઈ દર્દીનું નિદાન થઈ શકે છે સુરક્ષિત રીતે, દૂરસ્થ અને સચોટ. અમે કૃત્રિમ જીવવિજ્ઞાન પણ વાપરી રહ્યા છીએ કોવીડ-નાઇનટીન માટે ઉમેદવારની રસી ડિઝાઇન કરવા. અમે બીસીજી રસીને ફરી રજૂ કરી રહ્યા છીએ, જેનો ઉપયોગ લગભગ એક સદીથી ટીબી સામે થતો હતો. તે જીવંત અવ્યવસ્થિત રસી છે, અને અમે સાર્સ-કોવ-બે એન્ટિજેન્સને વ્યક્ત કરવા માટે તેને ઇજનેરી આપી રહ્યા છીએ, જે રક્ષણાત્મક એન્ટિબોડીના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે રોગપ્રતિકારક શક્તિ દ્વારા। મહત્વનું છે કે, બીસીજી મોટા પ્રમાણમાં સ્કેલેબલ છે અને તેની પાસે સલામતી પ્રોફાઇલ છે જે કોઈ પણ રીપોર્ટ કરેલી રસીમાં શ્રેષ્ઠ છે. કૃત્રિમ જીવવિજ્ઞાન અને કૃત્રિમ બુદ્ધિના સાધનો સાથે, આપણે આ નોવેલ કોરોનાવાયરસ સામેની લડાઈ જીતી શકીએ છીએ. આ કાર્ય તેના ખૂબ પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ વચન વાસ્તવિક છે. વિજ્ઞાન અને તકનીકી આપણને એક મહત્વપૂર્ણ ફાયદો આપી શકે છે સુપર બગના જનીનો વિરુદ્ધ મનુષ્યની લડાઇમાં, યુદ્ધ આપણને જીતી શકે છીએ. આભાર. હું ઉતાહમાં રહું છું, એક સ્થળ હોવા માટે જાણીતું છે કેટલાક ખૂબ ધાક-પ્રેરણાદાયક આ ગ્રહ પર કુદરતી લેન્ડસ્કેપ્સ. ભરાઈ જવાનું સરળ છે આ આશ્ચર્યજનક દૃશ્યો દ્વારા, અને આ દ્વારા ખરેખર આકર્ષિત થયુ કેટલીકવાર પરાયું દેખાતી રચનાઓ. એક વૈજ્ઞાનિક તરીકે, હું પ્રેમ કરું છું કુદરતી વિશ્વ નિરીક્ષણ. પરંતુ સેલ બાયોલોજિસ્ટ તરીકે, મને વધારે રસ છે કુદરતી વિશ્વને સમજાવામાં ખૂબ, ખૂબ નાયા પાયે. હું પરમાણુ એનિમેટર છું, અને હું અન્ય સંશોધકો સાથે કામ કરું છું વિઝ્યુલાઇઝેશન બનાવવા માટે પરમાણુઓ કે જે ખૂબ નાના છે, તેઓ આવશ્યકરૂપે અદ્રશ્ય છે. આ પરમાણુઓ નાના